પરંતુ વિપક્ષ મણિપુરને કેન્દ્રમાં રાખવા માંગતો હતો. આનાથી નક્કી છે કે આ મુદ્દા પર ચૂંટણી મૌસમમાં સપૂર્ણ પ્રમાણે ઇનકેસ કરવા માંગે છે. એ વાત ભૂલવી ન જોઈએ કે મણિપુરમાં પણ બીજેપી ડબલ એન્જીનવાળી સરકાર છે. આ એ ડબલ એન્જીન છે જેનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા થાકતા નથી. કોઈપણ ચૂંટણી કેમ ન હોય, ડબલ એન્જીનવાળો દાવ દરેક વખત ચલાવવામાં આવે છે. ઉત્તર પ્રદેશ હોય, ઉત્તરાખંડ હોય, ગુજરાત હોય, પૂર્વોત્તરનું ત્રિપુરા હોય, બીજેપીના આ ડબલ એન્જીનના નામ અનેક રાજ્યોમાં પોતાની સરકાર બનાવી છે. કર્ણાટકમાં આ એન્જીન ચૂંટણી મોસમમાં પાટા પરથી સંપુર્ણ પણે ઉતરી ગઈ છે. હવે મણિપુરમાં હાલાત વિસ્ફોટક બન્યા છે. બીરેન સિંહનો વિવાદોમાં રહેવું, કાયદો વ્યવસ્થા પડકાર વિપક્ષ આ વખતે પોતાની ચૂંટણી નેરેટિવમાં મણિપુરના સહારે ડબલ એન્જીનવાળો દાવની હવા નીકળવાની પરી કોશિશ કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત મણિપુરના જે મુખ્યમંત્રી છે એન બીરેન સિંહ તેઓ પણ વિવાદોમાં ઘેરાયેલા છે. આમ પણ તેમની કોઈ માસ લીડરવાી છબી નથી. આ કારણે તે આસાનીથી પણ નિશાના પર આવી રહ્યા છે. આ સમયે તો મણિપુર આમ પણ સળગી રહ્યું છે. સરકાર પર તેના રાજીનામા પર દબાણ સતત બની રહ્યું છે. અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન એક નહીં અનેક નેતાઓ વિપક્ષ તરફથી સીએમ બીરેન સિંહનું રાજીનામું માંગીને સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેઓ એક નિષ્ફળ સીએમને બચાવવાનું કામ કરી રહી છે.: કાકા-ભત્રીજાની લડાઈ ઉકેલાશે? વધારે મોટી વાત એ છે કે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં વિપક્ષનો આ મુદ્દો જમીન પર વધારે નજીક નથી. આંકડા કંઇક અલગ સાક્ષી પુરી શકે છે. સંભવ છે કે કેટલીક જગ્યાએ સરકાર વિરુદ્ધ છે કારણ કે સીએમ યોગી આદિત્યનાથનું માર્કેટિંગ એ પ્રકારે કરવામાં આવ્યું છે કે તેમની ઓળખ એક કડક નેતા વાળી છે. તેમના ઉપર જ્યારથી બુલડોઝર બાબાનો ટેગ લગાવવામાં આવ્યો છે. તેની છાપ વધારે કડક બની છે. આવી સ્થિતિમાં કાયદો વ્યવસ્થાવાળી જે દાળ યુપીમાં ન ગળી તેને ઇન્ડિયા મણિપુરમાં રાંધવાની કોશિશ કરનારી છે. મોંઘવારી, બેરોજગારી, ઇન્ડિયાના આમ આદમીવાળા મુદ્દા હવે મણિપુર ઉપરાંત વિપક્ષના એજન્ડા ઉપર મોંઘવારી, ભારત-ચીન સીમા વિવાદ, બેરોજગારી, તપાસ એજન્સીઓનો દુરુપયોગ જેવા મુદ્દા પણ છવાયેલા રહ્યા છે. અહીં પણ મોંઘવારી અને બેરોજગારી બે એવા મુદ્દા છે જેનો સીધો સંબંધ સામાન્ય જનતા સાથે છે. એટલે કે જો આ મુદ્દા ઉપર યોગ્ય પ્રકારે રણનીતિ બનાવીને વિપક્ષ રમે તો એનડીએ માટે ખતરાની ઘંટી વાગી શકે છે. આ સમયે ટામેટાના ભાવ જે પ્રકારે રોકેટ બન્યા છે. તેને જોતા વિપક્ષનો મોંઘવારીવાળો દાવ હિટ પણ સાબિત થઇ શકે છે. એ જ પ્રકારે બેરોજગારીને લઈને અનેક રાજ્યોમાં પણ બીજેપી માટે ખબર સારી નથી. એમપીમાં તો છાસવારે લોકોનું નોકરી માટે સડક ઉપર પ્રદર્શન કરવું સામાન્ય બાબત છે. આવી સ્થિતિમાં આ મુદ્દો પણ બીજેપી વિરુદ્ધ ચૂંટણી મૌસમમાં ઉપયોગમાં લેવા જઈ શકે છે. અજીતનો સાથ, ભ્રષ્ટાચારમાં ઘેરાયેલી બીજેપી આ ઉપરાંત ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ભ્રષ્ટાચારના મુદ્દા પર પણ બીજેપીને ઘેરવાનું કામ કર્યું છે.